પાકિસ્તાન હસ્તકના કામીર અંગે પણ સ્પષ્ટતા કરવા તેમણે જણાવ્યું હતું ચંદ્રચુડ અશોક ભૂષણ અને એસ ગૃહમંત્રીએ આ ખરડો રજૂ કર્યો ત્યારે વિરોધપક્ષ સાથે ગરમાગરમી થઇ ગઇ હતી. પાકિસ્તાની દળોએ જમુના રાજૌરી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદે સંઘર્ષ વિરામનો ભંગ કરીને ભારતીય ચોકીઓ અને રહેણાંક વિસ્તારોમાં આડેધડ ગોળીબાર કર્યો છે આ યોજના પ્રથમ તબક્કામાં સમગ્ર રાજ્યમાં પચાસ કેન્દ્રો ઉપર શરૂ કરાશે. અદાલતે આરોપીઓને ફરીથી પોસ્ટ મોર્ટમ થયા બાદ તેમના મૃતદેહો આરોપીઓના કુટુંબીજનોને સોંપવાનો પણ આદેશ આપ્યો છે. ભારતે જણાવ્યું છે કે એકબીજાની આંતરિક બાબતોમાં દખલ નહીં દેવાની સ્વીકાર્ય રાજદ્વારી પ્રથા તેમજ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોની દ્રષ્ટિએ આ બાબત સ્વીકાર્ય નથી એવી જ રીતે આરોપીઓ પાસેથી જાહેર મિલકતને થયેલા નુકસાનની વસૂલાત કરાશે બંને પક્ષો એકબીજાની સંવેદનશીલતા અને ચિંતા સમજીને પરસ્પર વિશ્વાસના આધારે ભવિષ્યના દ્વિપક્ષીય સંબંધો આગળ વધારવા સંમત થયા હતા દરમ્યાન સિલાઇ કલાન તરીકે ઓળખાતા સૌથી વધુ ઠંડીના ચાલીસ દિવસોના સમયગાળાનો આરંભ થયો છે .બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોવલે જ્યારે ચીનના વિદેશમંત્રી વાંગ યીએ ચીનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું .વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ બંને અગ્રણીઓએ સરહદને લગતી બાબતમાં ભારત અને ચીનના ડ્યૂહાત્મક સંબંધોના આધારે આગળ વધવા ઉપર ભાર મૂક્યો હતો .આમ થવાથી રેલવે કોચની વધતી જતી માંગણીને પહોંચી વળવામાં મદદ મળી છે. આ ઉત્પાદનના લક્ષ્ય સુધી પહોંચવા કામકાજના દિવસો ગયા વર્ષે બસ્સો નેવ્યાસી હતા તે ઘટાડીને ચાલુ વર્ષે બસ્સો પંદર કરવામાં આવ્યા છે. બંને પક્ષો એ બાબતે પણ સંમત થયા હતા કે સ્થિર અને સંતુલિત એવા ભારત અને ચીનના સંબંધ પ્રાદેશિક શાંતિ અને સમૃદ્ધિ માટે સકારાત્મક પાસુ બની રહેશે .ઉત્તરપ્રદેશમાં સંવેદનશીલ વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને રાજ્યપાલ આનંદીબેન પટેલે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે સંયુક્ત પંચની બેઠક ઇરાન અને ભારતના વિદેશમંત્રીઓના અધ્યક્ષપદે યોજાવાની છે .વિદેશમંત્રી એસ ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેની શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક વન ડે ક્રિકેટ મેચ આવતીકાલે કટકમાં રમાશે. ભારતીય રેલવેની ઇન્ટગ્રલ કોચ ફેક્ટરીએ છેલ્લા નવ મહિનામાં ત્રણ હજાર કોચનું ઉત્પાદન કર્યું છે ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રાલયે મલેશિયાના પ્રધાનમંત્રી દ્વારા નાગરિકત્વ સુધારા ધારા બાબતે કરાયેલા નિવેદનને અવાસ્તવિક અને અસત્ય ગણાવ્યું છે. શ્રીમતી પટેલે ભારપૂર્વક જણાવ્યું છે કે નાગરિકત્વ સુધારા ધારાને કારણે કોઇ પણ નાગરિકના હિતને નુકસાન થશે નહીં હાલ તેમના મૃતદેહોને હૈદરાબાદની ગાંધી હોસ્પિટલના સાચવવામાં આવ્યા છે પણ કસૂરવારોને બક્ષવામાં આવશે નહીં દિલ્હી પોલીસે જુની દિલ્હી વિસ્તારમાં ગઇકાલે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનના મામલે દાખલ કરી છે અને સોળ લોકોની ધરપકડ કરી છે .ઉલ્લેખનીય છે કે ચેન્નાઇમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતનો આઠ વિકેટે પરાજય થયો હતો ભારતે મલેશિયાના નિવેદનને અપૂરતી માહિતીના આધારે કરાયેલું અને અસંવેદનશીલ ગણાવ્યું છે .દરમ્યાન રામપુર સહિત ઘણી જગ્યાએ આજે હિંસક દેખાવો થયા હતા દેખાવકારો દ્વારા કરાયેલા પથ્થરમારામાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહીત કેટલાક પોલીસ જવાનોને ઇજા થઇ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુરોપિયન પરિષદના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળનાર ચાર્લ્સ મિશેલને અભિનંદન આપ્યા છે આટલા સમયમાં વર્ષ બે હજાર ચૌદ સુધીમાં માત્ર એક હજાર કોચનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.